આ દરમિયાન ત્યાં ઘણા રાજકીય ફેરફારો થયા છે. પંચાયતી રાજના ત્રણેય સ્તરની સ્થાપના કરવામાં આવી છે, વિધાનસભા મતવિસ્તારના સીમાંકન દરમિયાન અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યા પછી, રાજ્યનો દરજ્જો રદ કરીને અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યાના આઠ મહિના પછી, સરકારે દેશના અન્ય ભાગોમાંથી લોકોને જમ્મુ અને કાશ્મીરમાં સ્થાયી થવાની મંજૂરી આપવા માટે ડોમિસાઇલ કાયદામાં ફેરફાર કર્યો. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં પણ રાજકીય કટ્ટર હરીફો મિત્રો બનતા અને મિત્રો હરીફ બનતા પણ જોવા મળ્યા છે. જિલ્લા પરિષદની ચૂંટણી જમ્મુ અને કાશ્મીરના તમામ ટ્વેન્ટી જિલ્લાઓમાં ટ્વેન્ટી એઈટ નવેમ્બર અને નાઈનટિન ડિસેમ્બર, વચ્ચે જિલ્લા વિકાસ પરિષદ ની ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીએ પાયાના સ્તરે લોકતાંત્રિક પ્રક્રિયાની આશા જગાવી હતી. કાકા-ભત્રીજાની લડાઈ ઉકેલાશે? ડીડીસી જિલ્લા સ્તરે વિકાસ કાર્યો માટે વાર્ષિક અને અન્ય યોજનાઓ તૈયાર કરે છે. અધિક જિલ્લા વિકાસ કમિશનર ડીડીસીના મુખ્ય કાર્યકારી અધિકારી હોય છે. જોકે, ઘણી જગ્યાએ પ્રમુખોએ ફરિયાદ કરી છે કે, અધિકારીઓ ચૂંટાયેલા સભ્યોને આયોજનમાં સામેલ કરતા નથી. તેમની સમક્ષ માત્ર ચકાસણી માટે યોજના મૂકવામાં આવે છે. કેટલાક પ્રમુખોએ આક્ષેપ કર્યો હતો કે, તેમના માસિક માનદ વેતનમાં પણ વિલંબ થાય છે. જૂના હરીફો સાથે આવ્યા કલમ થ્રી હન્ડ્રેડ સેવેનટી નાબૂદ કર્યા પછી, લગભગ તમામ અગ્રણી વિપક્ષી નેતાઓને કાં તો અટકાયતમાં લેવામાં આવ્યા હતા અથવા તેમની પ્રવૃત્તિઓ પર રોક લગાવી દેવામાં આવી હતી. મુખ્ય પ્રવાહના પક્ષોની રાજકીય પ્રવૃત્તિઓ અટકી જવાથી, નવા સંગઠનો ઉભરી આવ્યા અને ઘણા નેતાઓએ પક્ષ બદલી નાખ્યો. પીડીપીને સૌથી વધુ નુકસાન થયું છે. પ્રમુખ મહેબૂબા મુફ્તીની 'પ્રિવેન્ટિવ' અટકાયતને કારણે, તેના ઘણા વરિષ્ઠ નેતાઓએ પાર્ટી છોડી દીધી. પૂર્વ મંત્રી અલ્તાફ બુખારી અને પીડીપીના કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓએ ટૂ થાઉસન્ડ ટ્વેન્ટીમાં 'જમ્મુ અને કાશ્મીર અપની પાર્ટી'ની રચના કરી હતી. રાજકીય રીતે કટ્ટર હરીફો નેશનલ કોન્ફરન્સ અને એ માં પીપલ્સ એલાયન્સ ફોર ગુપકર ઘોષણા ના બેનર હેઠળ કાશ્મીરની પરંપરાગત રાજનીતિને નષ્ટ કરવાના ભાજપના સતત પ્રયાસોનો સામનો કરવા માટે અન્ય ઘણા વિરોધ પક્ષો સાથે હાથ મિલાવ્યા છે. એ ચૂંટણીમાં સર્વસંમતિથી ઉમેદવારો ઉભા રાખ્યા અને વન હંડ્રેડ ટ્વેલ્વ બેઠકો જીતી. બીજા નંબરે ભાજપે સેવેનટી ફાઈવ બેઠકો જીતી હતી. આ સિવાય અપક્ષ ફિફ્ટી, કોંગ્રેસ ટ્વેન્ટી સિક્સ, અપની પાર્ટી ટ્વેલ્વ, પીડીએફ અને નેશનલ પેન્થર્સ પાર્ટી ટૂ-ટૂ, બસપા વન સીટ પર રહી હતી.